ચાલો એક નજર કરીએ. ચાલો જોઈએ કે માત્ર એક ચમચી મીઠું શું કરી શકે છે. જો આપણે એક ચમચી મીઠાને આ સમુદ્રના પાણીના ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલમાં ઉમેરીએ, તો તે સમુદ્રનું પાણી જ રહે છે. પરંતુ જો આપણે તે જ એક ચમચી મીઠું, આ શુદ્ધ નદીના પાણીના એક ગેલન જગમાં ઉમેરીએ, તો તરત જ તે પીવા માટે ખૂબ ખારું થઈ જાય છે. તો અહીં મુદ્દો એ છે, કારણ કે નદીઓનો જથ્થો સમુદ્રની તુલનામાં ખૂબ જ ઓછો છે, તેથી તે ખાસ કરીને માનવ પ્રવૃત્તિ માટે દુર્લભ છે, અને આપણે તેમના રક્ષણ માટે કાળજી લેવાની જરૂર છે. તેથી તાજેતરમાં, મેં સાહિત્યનો સર્વે કર્યો, વિશ્વભરની નદીઓના આરોગ્યને જોવા માટે અને હું બીમાર નદીઓનું આરોગ્ય જોવાની સંપૂર્ણ અપેક્ષા રાખું છું, ખાસ કરીને,પાણીની અછત અને ભારે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં.અને મેં તે ઉત્તરીય ચાઈના અને ભારતમાં જોયું. વધુ આશ્ચર્યજનક એ હતું કે સૌથી વધુ વધારો યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં જોવા મળ્યો હતો અને શુષ્ક દક્ષિણ પશ્ચિમમાં નહીં. આ લેખના લેખકોના અનુમાન મુજબ તે રસ્તાઓ પરનાં બરફ હટાવવા માટે કરેલા મીઠાના ઉપયોગને કારણે હોઈ શકે છે. સંભવિત, આ મીઠાનો અન્ય સ્ત્રોત, ખારશયુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી હોઈ શકે છે. તેથી જેમ તમે જુઓ છો, માનવ પ્રવૃત્તિ આપણી શુદ્ધ પાણીની નદીઓને સમુદ્રના જેવા પાણીમાં ફેરવી શકે છે. તેથી આપણે મોડું થઈ જાય તે પહેલા કંઈક કરવાની જરૂર છે અને મારી પાસે એક પ્રસ્તાવ છે. આપણે નદી સંરક્ષણ પદ્ધતિ માટે ત્રણ પગલાં લઈ શકીએ છીએ, અને જો ઓદ્યોગિક જળ વપરાશકાર આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે, તો આપણે નદીઓને વધુ સુરક્ષિત સ્થિતિમાં મૂકી શકીએ છીએ. આમાં શામેલ છે, નંબર એક આપણી નદીઓમાંથી, વોટર રિસાઇકલ અને ફરીથી ઉપયોગની કામગીરીના અમલીકરણ દ્વારા ઓછું પાણી નીકળશે. નંબર બે આપણે આ ખારા ઓદ્યોગિક ગંદા પાણીમાંથી મીઠું નીકાળવું જોઈએ અને તેને પુન: ર્પ્રાપ્ત કરી તેનો અન્ય હેતુ માટે ફરીથી ઉપયોગ કરવો જોઈએ. અને નંબર ત્રણ આપણે મીઠાના ઉપભોક્તાઓને, જેમનો હાલમાં મીઠાનો સ્ત્રોત એ ખાણો છે, તેમને રિસાઈકલ કરેલા મીઠાને સ્ત્રોત બનાવવા તરફ વાળવા જોઈએ. આ ત્રણ પગલાંની સંરક્ષણ પદ્ધતિ પહેલેથી અમલમાં છે. આ એ છે જેનો અમલીકરણ, ઉત્તરીય ચાઇના અને ભારત નદીઓના પુનર્વસન માટે કરી રહ્યા છે. પરંતુ અહીંયા હેતુ, આપણી નદીઓનું રક્ષણ કરવા આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, તેથી આપણે તેમના પુનર્વસનની જરૂર નથી. અને સારા સમાચાર એ છે કે, આપણી પાસે ટેક્નોલોજી છે જે આ કરી શકે છે. તે પટલ સાથે છે. પટલ જે મીઠું અને પાણીને અલગ કરી શકે છે. એ પટલ ઘણા વષોથી આસપાસ છે, અને તે પોલિમરીક સામગ્રી પર આધારિત છે, જે તેના કદના આધારે જુદા પડે છે, અથવા તેઓ ચાર્જને આધારે જુદા હોઈ શકે છે. પટલ કે જે મીઠું અને પાણીને અલગ કરવા માટે વપરાય છે, તે સામાન્ય રીતે ચાર્જને આધારે જુદા હોય છે. આ પટલને નકારાત્મક ચાર્જ કરવામાં આવે છે અને નકારાત્મક ચાર્જ કલોરાઇડ આયનોને દૂર કરવામાં મદદ કરે છે, જે ઓગળેલા મીઠામાં હોય છે.